આ યુવા પ્લેયર્સની બેટિંગ જોઈને લાગે છે કે તે ટૂંક સમયમાં ટીમ ઇન્ડિયા તરફથી રમતા જોવા મળશે. આવા કેટલાક યુવા ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ જે ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી કરી શકે છે. આ સિઝનમાં દમદાર પ્રદર્શન કરનાર અનકેપ્ડ ઇન્ડિયન પ્લેયર્સની લિસ્ટમાં ટોપ પર છે. રાજસ્થાન રોયલ્સ તરફથી યશસ્વીએ ફોર્ટીન મેચમાં સિક્સ હન્ડ્રેડ ટ્વેન્ટી ફાઈવ રન બનાવ્યા છે. જેમાં વન સદી અને પાંચ અડધી સદી ફટકારી છે. તેની સ્ટ્રાઇક રેટ વન સિક્સટી થ્રી પોઇન્ટ સિક્સ વનની રહી છે. આ સિઝનમાં ફાસ્ટેસ્ટ અડધી સદીનો પણ રેકોર્ડ નોંધાવ્યો હતો. રિંકુ સિંહ રિંકુ સિંહને કેકેઆરે આ સિઝન માટે ફિફ્ટી ફાઈવ લાખમાં ખરીદ્યો હતો પરંતુ તેનું પ્રદર્શન તેની ટીમમાં કરોડો રૂપિયા મેળવનારા ખેલાડીઓ કરતા ઘણું સારું હતું. રિંકુ સિંહે આ સિઝનમાં કેકેઆર માટે રમાયેલી ફોર્ટીન લીગ મેચમાં ફોર અડધી સદીની મદદથી ફોર સેવેનટી ફોર રન બનાવ્યા હતા. તે ટીમ માટે બેસ્ટ ફિનિશર તરીકે ઉભરી આવ્યો હતો. ગુજરાત ટાઇટન્સ સામે અંતિમ ફાઈવ બોલમાં ફાઈવ સિક્સર ફટકારીને જબરજસ્ત જીત અપાવી હતી. ગમે તેવી વિપરિત પરિસ્થિતિ હોય તો પણ ટીમને જીત અપાવવા સક્ષમ છે. ભારતે જાપાનને ફાઈવ-ઝીરોથી હરાવ્યું, હવે ફાઇનલમાં મલેશિયા સાથે થશે ટક્કર. ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ ચોથી ટી-ટ્વેન્ટી સ્પિનર્સ ફરી કરી શકે કમાલ, જાણો ફ્લોરિડામાં કેવી છે પિચ અને મોસમની સ્થિતિ? સુદર્શન માટે આ સિઝન શાનદાર રહી છે અને તે ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી મેળવવાનો દાવેદાર છે. તેણે આ સિઝનમાં એઈટ મેચમાં થ્રી અડધી સદી સાથે થ્રી સિક્સટી ટુ રન બનાવ્યા હતા. તેણે ફિફ્ટી વન પોઇન્ટ સેવન વનની એવરેજથી રન બનાવ્યા હતા. તિલક વર્મા મુંબઈ ઇન્ડિયન્સનો તિલક વર્મા પણ ફોર્મમાં જોવા મળ્યો હતો. તિલકે ઇલેવન મેચમાં થ્રી ફોર્ટી થ્રી રન બનાવ્યા હતા જેમાં એક અડધી સદી ફટકારી હતી. ટીમને જ્યારે જરૂર હતી ત્યારે તેણે ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. મિડલ ઓર્ડરમાં ટીમ ઇન્ડિયાને મુશ્કેલ સ્થિતિમાં કામ આવી શકે છે. સુયશ શર્મા કોલકાતા નાઇટ રાઇડર્સના મિસ્ટ્રી સ્પિનર સુયશ શર્મા પણ પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કરવા સફળ રહ્યો છે. તેની અજીબ એક્શન પણ ચર્ચામાં રહી હતી. આઈપીએલની આ સિઝનમાં સુયશે ઇલેવન મેચમાં ટેન વિકેટ ઝડપી હતી. તે ટીમ ઇન્ડિયામાં સ્પિનરના વિકલ્પ તરીકે એન્ટ્રી કરી શકે છે. અવિશ્વાસ પ્રસ્તાવ અમારી સરકારનો ફ્લોર ટેસ્ટ નહીં પરંતુ વિપક્ષનો ફ્લોર ટેસ્ટ છે, જાણો પીએમ નરેન્દ્ર મોદીના ભાષણની મોટી વાતો અવિશ્વાસ પ્રસ્તાવ અમારી સરકારનો ફ્લોર ટેસ્ટ નહીં પરંતુ વિપક્ષનો ફ્લોર ટેસ્ટ છે, જાણો પીએમ નરેન્દ્ર મોદીના ભાષણની મોટી વાતો, નરેન્દ્ર મોદીએ કહ્યું અવિશ્વાસ પ્રસ્તાવ અમારી સરકારનો ફ્લોર ટેસ્ટ નહીં પરંતુ વિપક્ષનો ફ્લોર ટેસ્ટ છે. વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ અમારા માટે શુભ હોય છે. એનડીએ અને ભાજપ બધા રેકોર્ડ તોડીને ટૂ થાઉસન્ડ ટ્વેન્ટી ફોરમાં સત્તામાં પાછી આવશે. નરેન્દ્ર મોદીએ ગુરુવારે અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.